આકોલી ગામે વાવાઝોડાના કારણે ખેડૂત હંસુભા ગાજુભાના ખેતરમાં પતરાના શેડ ધરાશી થયા હતા. આ ઉપરાંત, કુદરતી આફત વચ્ચે જગતસિંહ દિવાનસિંહના ખેતરમાં આકાશી વીજળી ત્રાટકતાં એક ભેંસનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જેથી પશુપાલક પરિવાર આર્થિક રીતે ભાંગીયો ભાંગી પડ્યો છે. આ નુકસાન અંગે તલાટી અને તાલુકા વિકાસ અધિકારીને જાણ કરવામાં આવી છે. ખેડૂતો દ્વારા તાત્કાલિક નુકસાનનો સર્વે કરી યોગ્ય વળતર આપવાની માંગ કરવામાં આવી રહી છે. ઉનાળુ બાજરીના પાકનો કચરઘાણ કચ્ચરઘાણ: ખેડૂતોની આપવીતી સરહદી વિસ્તારોમાં અત્યારે ઉનાળુ બાજરીની લણણી ની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે. તે જ સમયે અચાનક આવેલા વરસાદે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે. સ્થાનિક ખેડૂત દિનેશભાઈ હીરાભાઈ પટેલે જણાવ્યું કે, મેં બે વીઘા જમીનમાં બાજરી વાઢીને રાખી હતી. રાત્રે વાવાઝોડા સામે પાકને તાડપત્રીથી ઢાંક્યો હતો, પરંતુ તેજ પવનના કારણે ચાદર અને તાડપત્રી હવામાં ઊડી જતાં મારી સો મણ જેટલી તૈયાર બાજરી સંપૂર્ણપણે પલળી ગઈ છે. અન્ય ખેડૂત કાળુભાઈ પટણીએ વ્યક્ત કર્યું કે, મારી ત્રણ વીવિધિના ની કાપેલી બાજરી પલળી લઈ ગઈ છે. પવનથી રક્ષણ આપતું તાપડું ખુલી જતાં નુકસાન થયું છે, હાલમાં અમે પલળેલી બાજરીને ખુલ્લી કરીને સુકવવા બન્યા છીએ. પાટણ જિલ્લો: રાધનપુરના બાદરપુરામાં તંત્ર સામે જનઆક્રોશ રાધનપુર પંથકમાં એક ઇંચ વરસાદની સાથે ફૂંકાયેલા તોફાની પવનના કારણે બાદરપુરા ગામમાં વ્યાપક નુકસાન થયું છે. ગામમાં પંદર થી વધુ ગરીબ પરિવારોના ઘરોના પતરાં હવામાં ઊડી ગયા હતા. વીજ વાયરો તૂટી પડવાના કારણે સમગ્ર ગામમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ગુલ થઈ ગયો છે. સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે આ કુદરતી હોતકતના કલાકો વીતી ગયા હોવા છતાં આપત્તિ વ્યવસ્થાપન કે મહેસૂલ વિભાગના કોઈ પણ સરકારી અધિકારીએ હજુ સુધી સ્થળ મુલાકાત લઈ નાગરિકોની સુધબુધ લીધી નથી. અમદાવાદમાં મધ્યરાત્રે તોફાન, ફ્લાઇટ્સ ડાયવર્ટ અને વૃક્ષો ધરાશાયી અમદાવાદ શહેરમાં એક જૂનની મોડી રાત્રે દસ વાગ્યા બાદ અને ત્યારબાદ મધરાતે બે વાગીને ત્રીસ મીનીટે પવન સાથે ધોધનાર વરસાદ તૂટી પડ્યો હતો. શહેરમાં સુરેશ દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. પશ્ચિમ અમદાવાદમાં અંદાજે એક ઈંચ સુધીનો વરસાદપશ્ચિમ અમદાવાદના પાલડી, સરખેજ, જુહાપુરા, બોપલ, હાઇવે, વાસણા, આશ્રમરોડ, ગોતા, ચાંદલોડિયા અને બોડકદેવમાં અડધો થી એક ઇંચ વરસાદ પડ્યો હતો. ઉસ્માનપુરા, ચાંદખેડા, થલતેજ, જોધપુર, સેટેલાઈટ અને રાણીપમાં અડધો ઇંચ જ્યારે પૂર્વ વિસ્તારના રામોલ, જશોદાનગર અને અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. મણિનગર, નરોડા અને ઓઢવમાં અડધા ઇંચથી ઓછો વરસાદ હતો. સાત ફ્લાઇટ્સને સુરત એરપોર્ટ કરાઈ, વૃક્ષો પડવાની પંદર ફરિયાદ ખરાબ હવામાન અને વિઝિબિલિટી ઘટવાના કારણે અમદાવાદ આવતી સાત ફ્લાઇટ્સને સુરત એરપોર્ટ ખાતે ડાયવર્ટ કરાઈ.